ઘણા વર્ષો પહેલા મેં એક ચાઈનીઝ વાર્તા વાંચી હતી, વાર્તા અનુસાર, પ્રાચીન ચીનમાં એક ગામમાં, એક વૃદ્ધ તેમના એકમાત્ર યુવાન પુત્ર સાથે રહેતા હતા. તેની પાસે એક ઊંચો, સુંદર, ઉચ્ચ જાતિનો ઘોડો હતો. આ ઘોડાની ચર્ચા દૂર દૂર સુધી હતી. આજુબાજુના ગામો, શહેરોના ઘણા ધનવાનો, નવાબો ઘોડા ને જોવા અને ખરીદવા આવતા હતા. વૃદ્ધ સ્પષ્ટ ના પાડી દેતા. ને કહેતા કે તે ઘોડો નથી, મારા બાળકો જેવો છે અને બાળકો વેચતા નથી. ગામમાં તેના શુભચિંતકો તેને સમજાવતા કે તું ગરીબ માણસ છે, કિંમતી ઘોડાનું રક્ષણ કરી શકશે નહીં, સારા ભાવે માંગવામાં આવે છે, તેને વેચી દો. વૃદ્ધે આ સલાહતે એક કાનેથી સાંભળતો અને બીજા કાનેથી કાઢી દેતો. એક સવારે પિતા અને પુત્ર બંને જાગયા અને જોયું કે જે રૂમમાં ઘોડો બંધ હતો તેનો દરવાજો ખુલ્લો હતો અને ઘોડો ત્યાં નહોતો. તેઓએ આમ તેમ શોધ કરી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહીં. જ્યારે ગામલોકોને ખબર પડી ત્યારે તેઓ સહાનુભૂતિ આપવા આવ્યા. કોઈને સહાનુભૂતિ થઈ, તો કોઈએ તેમને તેમની સલાહ યાદ અપાવી કે તેઓ તમને ઘોડો વેચવાનું કહેતા હતા, પણ તમે તે સ્વીકારવા તૈયાર નહોતા, હવે જુઓ તમારું નસીબ કેટલું ખરાબ છે. આ સાંભળીને વૃદ્ધ ગુસ્સે થઈ ગયા અને હતાશામાં બોલ્યા, મારો ઘોડો ગાયબ થઈ ગયો એ વાત સાચી, પણ આ મારા દુર્ભાગ્યને કેવી રીતે સાબિત કરે છે? ગામલોકોએ આશ્ચર્ય સાથે આ દલીલ સાંભળી અને કહ્યું કે આટલો મોંઘો ઘોડો ચોરાઈ જાય તો બીજું શું? બસ, એ લોકો ઠેકડી ઉડાડતા ઘરે પાછા ફર્યા. થોડા દિવસો પછી એ જ ઘોડો ઘરે પાછો આવ્યો અને પોતાની સાથે એકવીસ ભવ્ય જંગલી ઘોડા લાવ્યો. ત્યારે સમજાયું કે ઘોડો ચોરાયો નથી, કદાચ દ દરવાજો બરાબર બંધ ન હતો, ધડાકા સાથે તે ખુલ્યો અને ઘોડો નજીકના જંગલમાં નીકળી ગયો. ત્યાં બીજા ઘોડા તેના મિત્રો બની ગયા, હવે તે તેમને સાથે લાવ્યો. આ સમાચાર ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. લોકો અભિનંદન આપવા દોડી આવ્યા હતા. તેણે કહ્યું કે ઘોડાની ખોટ તમારી કમનસીબી નથી, પરંતુ તમારું નસીબ હતું, હવે એકને બદલે તમને બાવીસ અદ્ભુત ઘોડા મળ્યા છે. બાબાએ પહેલા તો ચુપચાપ સાંભળ્યું અને પછી ઠપકો આપતા કહ્યું, તમે લોકો હંમેશા ઉંધી સીધી વાત કરો છો, સારું થયું કે મારો ઘોડો પાછો ફર્યો અને પોતાની સાથે આટલા ઘોડા લાવ્યો, પણ કોણ કહે કે આ મારું સૌભાગ્ય છે? નસીબને તેની સાથે શું લેવાદેવા? લોકોને ફરી આશ્ચર્ય થયું કે અજાબ વૃદ્ધ છે, સાદી વાત નથી સમજતા. સારું, તેઓ તેમના